ડીએમકે સરકાર અને રાજ્યપાલ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનું ભાવિ અનિશ્ચિત રહે છે, ડીએમકેના ટોચના નેતાઓએ જણાવ્યું હતું કે સંઘર્ષ રાજ્યમાં રાજકીય ગતિશીલતાને ઊંડી અસર કરે તેવી સંભાવના છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચોઉદ જૂને બાલાજીની ચેન્નાઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસમાં અઢાર કલાકની શોધખોળ બાદ ધરપકડ કરી હતી. મધ્યરાત્રિની ધરપકડ બાદ, બાલાજીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને તેને ઝડપથી શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબી તપાસમાં હૃદયની ગંભીર સ્થિતિ હોવાનું બહાર આવ્યું હતું અને તાત્કાલિક બાયપાસ સર્જરીની જરૂર હતી. તેની ન્યાયિક કસ્ટડી બાર જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટ હાલમાં બાલાજીની પત્નીની અરજી પર આધારિત કેસની સુનાવણી કરી રહી છે જેણે પૂર્વ ધરપકડની સૂચના વિના તેના પતિની ધરપકડ કરવાની ની સત્તાને પડકારી છે અને ત્યારબાદ તેની કસ્ટડી મેળવવાના અધિકારને પડકાર્યો છે. આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઠાકરે જૂથ કરી શકે છે યૂનિફોર્મ સિવિલ કોડનું સમર્થન! સરકાર મોનસૂત્ર સત્રમાં લાવી શકે છે બિલ, આજના તાજા સમાચાર ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ. ઉદ્ધવ ઠાકરે જૂથ કરી શકે છે યૂનિફોર્મ સિવિલ કોડનું સમર્થન, યૂનિફોર્મ સિવિલ કોર્ડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી માહિતી સામે આવી છે કે શિવસેના યુબીટી સસંદમાં યૂનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરી શકે છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ઇન્ડિયા ટૂડેમાં આવેલા એક રિપોર્ટમાં સંજય રાઉતના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પાર્ટી હંમેશા યુસીસીના સમર્થનમાં વિચારી રહી છે પણ અંતિમ નિર્ણય ડ્રાફ્ટ તૈયાર થયા પછી કરવામાં આવશે. સચિન પાયલટની ભૂમિકા કોંગ્રેસ માટે રાજસ્થાન છત્તીસગઢ જેટલું સરળ કેમ નહીં હોય, જાણો જોકે છત્તીસગઢની તુલનામાં રાજસ્થાનમાં કોંગ્રેસને મુશ્કેલી પડી શકે છે. જ્યાં શીત યુદ્ધ હોવા છતાં બઘેલ અને સિંહ દેવ એકબીજા પર વ્યક્તિગત હુમલાઓથી દૂર રહ્યા હતા. જ્યારે રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ તાપીમાં સતાવન રસ્તા બંધ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ પાણી-પાણી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ક્યાંક નદી નાળા છલકાયા તો ક્યાંક રસ્તા બંધ થયા. તાપી, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં આજે મેઘ તાંડવ જોવા મળ્યું હતું. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ રાજીનામું નહીં આપે, સમર્થકોની ભીડ જોઈને બદલ્યો પ્લાન, થયો જબરજસ્ત ડ્રામા: બિરેન સિંહ વીસ ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા જઈ રહ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. જેમણે તેમને ત્યાં જ રોક્યા હતા. ટોળાએ તેમનું રાજીનામું પણ ફાડી નાખ્યું હતું ઉદ્ધવ ઠાકરે જૂથ કરી શકે છે યૂનિફોર્મ સિવિલ કોડનું સમર્થન, સરકાર મોનસૂત્ર સત્રમાં લાવી શકે છે બિલ યૂનિફોર્મ સિવિલ કોર્ડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી માહિતી સામે આવી છે કે શિવસેના યુબીટી સસંદમાં યૂનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરી શકે છે.